આય વી ટ્રોજન હોર્સ "કીમેરિક એન્ટિજેન", "રીસેપ્ટર ટી કોષો" અથવા સીએઆર ટી કોષો કહેવાવું જોઈએ. વાયરસ આનુવંશિક માહિતી પણ દાખલ કરે છે ટી કોષોને સક્રિય કરવા અને તેમને પ્રોગ્રામ કરવા તેમના હત્યા પ્રકારમાં. તેથી, જ્યારે સીએઆર ટી કોષ ઇન્જેક્ટ કરવામાં આવે છે કેન્સરવાળા કોઈમાં, શું થાય છે જ્યારે તે સીએઆર ટી કોષ જુએ અને તેમના ગાંઠ સાથે જોડાય ટી કોષ સુપરચાર્જ્ડ કિલરની જેમ વર્તે છે સ્ટીરોઇડ્સ પર. તેઓ આ ક્રેશ-સંરક્ષણ શરૂ કરે છે શરીરમાં બિલ્ડઅપ સિસ્ટમ અને શાબ્દિક રીતે વિભાજીત અને ગુણાકાર લાખો દ્વારા જ્યાં તેઓ પછી હુમલો કરી ગાંઠો ગાંઠને મારી નાખે છે. આ બધાનો અર્થ એ છે કે સીએઆર ટી કોષોમાં પ્રથમ જીવંત દવા છે. સીએઆર ટી કોષો ઘાટ તોડી નાખે. સામાન્ય દવાઓ જે તમે લો છો તેનાથી વિપરીત તેઓ તેમનું કાર્ય કરે છે અને ચયાપચય થાય છે અને પછી તમારે તેમને લેવાનું રહેશે. સીએઆર ટી કોષો જીવંત રહે છે અને વર્ષો સુધી કામ કરે. અમારી પાસે સીએઆર ટી કોષો રહે છે કેન્સરના દર્દીઓના શરીરમાં હવે આઠ વર્ષથી વધુ સમય માટે. અને આ ડિઝાઇનર કેન્સર ટી કોષો ગણતરી અર્ધ જીવન છે સત્તર વર્ષ કરતાં વધુ. તેથી એક પ્રેરણા કામ કરી શકે છે. તેઓ પેટ્રોલીંગ પર રહે છે તમારા બાકીના જીવન માટે. આ શરૂઆત છે દવામાં નવા દાખલાની. હવે, ત્યાં એક મોટો પડકાર હતો આ ટી-સેલ પ્રેરણા માટે. ટી કોષોનો એક માત્ર સ્રોત જે દર્દીમાં કામ કરશે તમારા પોતાના ટી સેલ છે સિવાય કે એક સરખા જોડી જોડિયા તમારી પાસે થાય. તેથી આપણે ખરાબ ભાગ્યથી બહાર છીએ. તેથી અમે જે કર્યું તે સીએઆર ટી કોષો બનાવવા માટે કર્યું. અમારે દર્દીના પોતાના ટી કોષોને વધારવાનું શીખવું હતું. નવા દયકામાં આ માટેનું પ્લેટૉર્મ માટે એક મજબૂત વિકાસ કર્યો. અમે પ્રથમ વાર દર્દીઓમાં સીએઆર ટી કોષોનું પરીક્ષણ કર્યું અદ્યતન એચઆયવી એડ્સ સાથે અને અમે જોયું કે તે સીએઆર ટી કોષો જે દર્દીઓમાં બચી ગયા છે એક દાયકા કરતાં વધુ સમય માટે. અને તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયો અને વાયરસ ઘટી ગયા પણ તે ઇલાજ કરી શક્યો નહીં. તેથી અમે પાછા પ્રયોગશાળામાં ગયા અને આગામી દાયકામાં સુધારાઓ કર્યા સીએઆર ટી સેલ ડિઝાઇન પર. અમે લ્યુકેમિયા દર્દીઓની સારવાર શરૂ કરી અને અમારી ટીમે ત્રણ દર્દીઓની સારવાર કરી લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા. પ્રથમ દર્દી પ્રથમ દર્દી કે જેની અમે સારવાર કરી નિવૃત્ત મરીન સાર્જન્ટ હતો અને જેલ સુધારણા અધિકારી તેની પાસે અઠવાડિયુ જ હતું.